માતા હોસ્પિટલમાં દાખલ છે ને બીજી વખત દુલ્હન બની, બોયફ્રેન્ડ સાથે કર્યા કોર્ટ મેરેજ .એન્ટરટેઈનમેન્ટ ક્વીન રાખી સાવંત ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાખીએ તેના બોયફ્રેન્ડ આદિલ દુર્રા ની સાથે બીજા લગ્ન કર્યા છે. પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા બાદ રાખીએ આદિલ સાથે કોર્ટ મેરેજ કર્યા છે. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બીજી વખત દુલ્હન બની આદિલને ડેટ કર્યા પછી રાખી સાવંતે તેને પોતાનો જીવનસાથી બનાવી લીધો છે. લગ્નની વાયરલ તસવીરોમાં રાખી અને આદિલ મેરેજ સર્ટિફિકેટ પર સહી કરતા જોવા મળે છે. બીજી તસવીરમાં રાખી અને આદિલ તેમના હાથમાં મેરેજ સર્ટિફિકેટ પકડેલા જોવા મળે છે. રાખીના અચાનક લગ્નના ફોટા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. લોકો એ જાણવા ઉત્સુક છે કે શું રાખીએ ખરેખર આદિલ સાથે લગ્ન કર્યા છે? વાયરલ ફોટોમાં આદિલના ગળામાં માળા પહેરેલી જોવા મળે છે. રાખીએ પ્રિન્ટેડ શરારા સૂટ પહેર્યો છે. માથે દુપટ્ટો ઓઢીને રાખી સાવંત પોતાનું મેરેજ સર્ટિફિકેટ બતાવી રહી છે. આદિલ પણ રાખી સાથે પોઝ આપી રહ્યો છે. રાખીએ સાત મહિના પહેલા લગ્ન કર્યા હતા રાખીના લગ્નના ફોટા જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે કારણ કે રાખીની માતા હોસ્પિટલમાં જીવનની લડાઈ લડી રહી છે. કેન્સર પછી તેણીને મગજની ગાંઠ હોવાનું નિદાન થયું છે. માતાની બિમારી વચ્ચે રાખીના લગ્નની વાતે લોકોના હોશ ઉડાવી દીધા છે. આવી સ્થિતિમાં હવે રાખીએ આદિલ અને તેના લગ્નની વાસ્તવિકતા દુનિયાને જણાવી છે. પોતાના લગ્ન વિશે વાત કરતા રાખીએ કહ્યું,'મારા લગ્નને સાત મહિના થઈ ગયા છે. આદિલે મને છુપાવવા કહ્યું હતું. મારા કોર્ટ મેરેજ થઈ ગયા છે. લગ્ન થઈ ગયા. હું હવે કહું છું, કારણ કે તે કહેવું જરૂરી છે. મારા જીવનમાં કંઈક સારું નથી ચાલી રહ્યું.' રિતેશ સાથે છૂટાછેડા પછી રાખીને આદિલમાં પ્રેમ જોવા મળે છે. આદિલ સાથે રાખી સાવંતના આ બીજા લગ્ન છે. અભિનેત્રીએ પહેલા બિઝનેસમેન રિતેશ સાથે લગ્ન કર્યા હતા. રાખી રિતેશ સાથે બિગ બોસમાં પણ જોવા મળી હતી, પરંતુ તેમનો સંબંધ ચાલી શક્યો નહીં. આવી સ્થિતિમાં રિતેશ અને રાખીએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. તેના પહેલા પતિ રિતેશથી અલગ થયા બાદ આદિલે ના જીવનમાં પ્રેમની મીઠાશ આવી હતી. રાખીએ ખુલ્લેઆમ આદિલ માટે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. રાખી અને આદિલ ખુલ્લેઆમ એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે.